એક સાપે તળાવમાં રહેતા તમામ દેડકાઓને ખાઈ જવાની યોજના બનાવી હતી. સાપે દેડકાને કહ્યું, 'બ્રાહ્મણના શાપને કારણે હું અહીં તમારી સેવા કરવા આવ્યો છું. 'દેડકાનો રાજા ખૂબ જ ઉત્સાહિત હતો અને દેડકાઓને આ વાત જણાવી. બધા દેડકાઓ કૂદીને સાપની પીઠ પર સવારી કરવા ગયા. બીજા દિવસે, સાપે કહ્યું, ' મારી પાસે ખાવા માટે કંઈ નથી. હું ઝડપથી ચાલી પણ કરી શકતો નથી. ' દેડકા રાજાએ કહ્યું,' તમે તમારી પૂંછડીની પાછળ બેઠેલો સૌથી નાનો દેડકો ખાઈ શકો છો. 'સાપે પણ એવું જ કર્યું. થોડા દિવસોમાં સાપે એક પછી એક બધા દેડકા ખાધા. માત્ર દેડકા નો રાજા જ રહ્યા. બીજે દિવસે, દેડકાના રાજા એ ફરી કહ્યું, ' તમે તમારી પૂંછડીની પાછળ બેઠેલા દેડકાને ખાઈ શકો છો ' અને સાપે તરત જ તેને ખાઈ લીધો. સિંહ અને વાઘ સારા મિત્રો હતા અને સાથે રહેતા હતા. નજીકમાં એક સાધુ રહેતા હતા. એક દિવસ, વાઘે કહ્યું, "જ્યારે ચંદ્ર નાનો થાય છે, શિયાળો આવવાનું શરૂ થાય છે. સિંહે જવાબ આપ્યો, "તમે મૂર્ખ, જ્યારે ચંદ્ર વધશે ત્યાં સુધી સંપૂર્ણ રીતે વિકસિત થશે, ત્યારે શિયાળો આવશે. સાચો જવાબ જાણવા માટે એ બંને મિત્રો સાધુ પાસે ગયા. સાધુએ કહ્યું, "ચંદ્રની કોઈપણ સ્થિતિ ઠંડી હોઈ શકે છે, પછી ભલે તે કદમાં વધારો કરી રહી હોય કે ઘટી રહી હોય. શિયાળો પવનને કારણે છે, હવે ભલે તે પશ્ચિમથી આવે, ઉત્તરમાંથી આવે કે પૂર્વથી આવે. આમ, તમે બંને સાચા છો. સાધુએ વધુમાં કહ્યું, "સૌથી મહત્વની બાબત એ છે કે એક થવું અને ઝઘડા વગર. તે પછી બંને સારા મિત્રો તરીકે ખુશીથી રહેવા લાગ્યા, અને તેમની મિત્રતા કાયમ રહી. એક સમયે કબૂતરોનું એક ટોળું,તેના રાજા સાથે તે ખોરાકની શોધમાં અહીં અને ત્યાં ઉડતું હતું. એક દિવસ તે બધા કબૂતરો જાળીમાં ફસાઈ ગયા. તેણે જાળમાંથી બહાર નીકળવાનો ઘણો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ થયા નહીં. કબૂતરોના રાજાના મનમાં એક વિચાર આવ્યો. તેણે તમામ કબૂતરોને કહ્યું કે જો તેઓ બધા એક સાથે ઉડવા માટે બળ લાગુ કરે તો તેઓ જાળી સાથે ઉડી શકે છે. બધા કબૂતરોએ તેની આજ્ઞા પાળી અને પૂરી તાકાતથી જાળી લીધી અને ઉડાન ભરી. જ્યારે શિકારીએ કબૂતરોને જાળ સાથે ઉડતા જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ઉડતા કબૂતરો ઉંદર પાસે આવ્યા. ઉંદર તેનો વિશ્વાસુ મિત્ર હતો. ઉંદરે તરત જ તેના દાંત વડે જાળી કાપી અને તમામ કબૂતરો મુક્ત થયા.